જુલિયા હોકિન્સ નું એવું કહેવું છે કે,"મેં જે કંઇ પણ કર્યું તેનાથી હું ખુબજ રોમાંચિત છું. પરંતુ મેં જેટલું કર્યું છે તે સારું કર્યું, હું નથી જાણતી આટલી વધુ ઉંમરમાં હું કઈ રીતે કરી શકી છુ. જુલિયા હોકિન્સ ચાર બાળકોની માતા, ત્રણ બાળકોની દાદી અને ત્રણ બાળકોની પરદાદી પણ બની ચૂક્યા છે. તે સો વર્ષની ઉંમરે દોડની રેસ માટે નીકળ્યા હતા. નેશનલ સિનિયર ગેમ એસોસિયન પ્રમાણે અમેરિકામાં સૌથી ઉંમરલાયક મહિલા દોડવાવાળી હોય તો આ જુલિયા હોકીન્સ છે. હોકિંગ્સ એ પોતાની લાંબી ઉંમર શા માટે છે? તેના વિશે જણાવતા કહ્યું છે કે 'તે આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને સતત ચાલવાનું શરૂ રાખે છે. હાલમાં તે કોઇ ખાસ પ્રકારની કસરત નથી કરતા. જ્યારે પહેલા તે કસરત કરતા હતા તે પણ હવે કસરત કરવાનું બંધ કરી દીધું છે. તે હંમેશા પોતાનું ખાવાનું અને સ્વાસ્થ્ય માટે ખુબ જ કાળજી રાખે છે. હોકીનસ હંમેશા વધારાના કાર્યો બગીચામાં કામ કરતી વખતે જ કરે છે. તેના પતિએ તેના માટે એક ખૂબ મોટું બોક્સ તૈયાર કર્યું છે જેમાં હોકિંગ્સ પોતાના બધા જ મેડલ મૂકી શકે. હાલમાં તેને પોતાની આગળની રેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના વિશે તે કશું જાણતી નથી.